તમે જાણો છો હું જુસ્સાદાર હોઈ શકું છું. જેમ કે, "તમે આશ્ચર્યજનક છો. હું તમને પ્રેમ કરું છું." પરંતુ અંદરથી હું ખરેખર અંગ્રેજી છું. તેથી દરેક જણ મને બળતરા કરે છે તે સાચું છે. અને વાત એ છે કે મારું કુટુંબ યમનથી આરબ છે અને મને ખબર છે કે જે ચેનલ બબ-અલ-મંડેબ પાર કરવા માટે તે એક પરાક્રમ નથી. અને હું મારી જાતને પૂછતો રહ્યો આ ખરેખર સરળ પ્રશ્ન, "જો ન્યૂ વર્લ્ડ વાંદરાઓ માટે પૂર્વજો કોઈક રીતે એટલાન્ટિક મહાસાગરને ઓળંગી શકે, મનુષ્ય કેમ પાર ન થઈ શક્યો પાણીનો તે નાનો પટ?" પરંતુ વાત એ છે કે યમન, યુરોપ તેથી અલ્પોક્તિ કરવામાં આવી હતી કે તે કંઈક સમાન હતું વર્જિન પ્રદેશ નજીક. પરંતુ તે તેના સ્થાન સાથે શોધ માટેની તીવ્ર સંભાવના બનાવી અતિ ઉતેજક અને મને ઘણા પ્રશ્નો થયા. અમે ક્યારે કર્યું? બાબ-અલ-માંડેબનો ઉપયોગ શરૂ કરો? પણ, મનુષ્યની કઈ પ્રજાતિ જાતને યમન માટે બનાવેલ છે? આપણે કોઈ જાતિ શોધી શકીએ હજુ સુધી વિજ્ માટે અજાણ? અને તે બહાર આવ્યું. હું એકલો જ નહોતો જેણે યમનની સંભવિતતાને ધ્યાનમાં લીધી હતી. ત્યાં ખરેખર હતી ત્યાં થોડા અન્ય વિદ્વાનો. પરંતુ દુર્ભાગ્યે, રાજકીય અસ્થિરતાને કારણે તેઓ બહાર નીકળી ગયા અને હું અંદર જતી રહી. અને હું ગુફાઓ શોધી રહ્યો હતો. ગુફાઓ કારણ કે ગુફાઓ મૂળ પ્રાઇમ રીઅલ એસ્ટેટ છે. પણ કારણ કે જો તમે શોધી રહ્યા છો તે પ્રકારની ગરમીમાં અવશેષો માટે, અશ્મિભૂત જાળવણી માટે તમારી શ્રેષ્ઠ શરત હંમેશા ગુફાઓ બનવાનું છે. પરંતુ તે પછી યમન લીધો ખરાબ માટે ખરેખર ઉદાસી વળાંક અને માત્ર થોડા દિવસો હું યમન જવા માટે નીકળ્યો હતો. તે પહેલાં ગૃહ યુદ્ધ વધ્યું પ્રાદેશિક સંઘર્ષમાં, રાજધાનીના વિમાનમથક પર બોમ્બ ધડાકા કરાઈ અને યમન નો ફ્લાય ઝોન બની ગયો. હવે, મારા માતાપિતાએ આ નિર્ણય લીધો છે મારા જન્મ પહેલાં કે હું બ્રિટીશ થયો હતો. મારે કરવાનું કંઈ નહોતું મારા જીવનના શ્રેષ્ઠ નિર્ણય સાથે. અને હવે, નસીબદાર મારા કુટુંબમાં છટકી ગઈ છે અને અન્ય અન્ય બોમ્બ ધડાકા કરવામાં આવી રહ્યા છે અને તમને સંદેશા મોકલો જેનાથી તમે તમારા અસ્તિત્વને નફરત કરશો. આ યુદ્ધ ચાર વર્ષથી ચાલી રહ્યું છે. તે ચાર વર્ષથી ચાલે છે અને તે માનવતાવાદી સંકટ તરફ દોરી ગયું છે. ત્યાં દુકાળ છે, માનવસર્જિત દુકાળ. તે માનવસર્જિત દુષ્કાળ છે. તેથી કુદરતી દુકાળ નહીં, સંપૂર્ણ માનવસર્જિત દુકાળ યુએન ચેતવણી આપી રહી છે કે સૌથી ખરાબ દુકાળ હોઈ શકે છે વિશ્વએ સો વર્ષમાં જોયું છે.